બમ્પર ઓપનિંગ બાદ પઠાણે બીજા ડીવસે પણ ઢમાકેદાર ક કલેક્શન કર્યું હટુ. કંગના રનૌટે પણ પઠાણની પ્રશંસા કરી હટી. પરંતુ હવે ની બોક્સ ઓફિસ પરની સફળતા પર કંગના રનૌટનું ટ્વિટ સામે આવ્યું છે. જ્યાં કંગનાએ સ્પષ્ટ લખ્યું હતું કે અંતે અહીં માત્ર જય શ્રી રામ ગુંજે છે. એ શું લખ્યું? કંગના રનૌટે ટ્વીટ કરીને લખ્યું કે, જેઓ ને નફરત પર જીતનો દાવો કરવા કહે છે તેમની સાથે હું સંમત છું, પરંતુ કોના પ્રેમ પર કોની નફરત? ટિકિટ કોણ ખરીદી રહ્યું છે અને કોણ તેને સફળ બનાવી રહ્યું છે? હા, આ ભારતનો પ્રેમ છે, જ્યાં એસી ટકા હિંદુઓ રહે છે અને છતાં પઠાણ નામની ફિલ્મ, જેમાં આપણા દુશ્મન દેશ પાકિસ્તાન ને સારી રીતે દર્શાવવામાં આવી છે, તે ફિલ્મ સફળતાપૂર્વક ચાલી રહી છે. આ ભારતની ભાવના છે. કોઈપણ દ્વેષ કે નિર્ણય વિના તે જ દેશને મહાન બનાવે છે. આ ભારતનો પ્રેમ છે જેણે દુશ્મનોની નફરત અને મામૂલી રાજનીતિ પર જીત મેળવી છે. એ કેમ કહ્યું માત્ર શ્રીરામ જ ગુંજશે? કંગના રનૌત આગળ લખે છે કે પણ એ બધા લોકો માટે જેમને ઘણી આશાઓ છે માત્ર એક ફિલ્મ બની શકે છે ગુંજેગા તો યહાં સિર્ફ જય શ્રી રામ, જય શ્રી રામ. અભિનેત્રીએ તેના ટ્વીટમાં પઠાણ માટે યોગ્ય નામ પણ સૂચવ્યું હતું. તેમના મતે ફિલ્મનું નામ ભારતીય પઠાણ હોવું જોઈતું હતું. કંગનાએ લખ્યું, 'મને ખાતરી છે કે, ભારતના મુસ્લિમો દેશભક્ત છે અને અને અફઘાન પઠાનોથી અલગ છે. ભારત ક્યારેય અફઘાનિસ્તાન બની શકે નહીં. આપણે બધા જાણીએ છે કે અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે, તે નરકની પણ પાર છે. તેથી તેની સ્ટોરીલાઇન મુજબ ફિલ્મ પઠાણનું સાચું નામ ભારતીય પઠાણ હશે.' ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી તબાહી- પઠાણના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો તેની નોનસ્ટોપ કમાણી ચાલુ છે. આ ફિલ્મ હાઈએસ્ટ ઈન્ડિયન ઓપનર ફિલ્મ બની ગઈ છે. પઠાણે રેકોર્ડ તોડ્યો છે. પઠાણે શરૂઆતના દિવસ કરતાં બીજા દિવસે વધુ કમાણી કરી હતી. હિન્દી વર્ઝને પહેલા દિવસે પંચાવન કરોડ અને બીજા દિવસે સિતેર કરોડની કમાણી કરી હતી. પઠાણે બે દિવસમાં એકસો વીસ કરોડનો આંકડો પાર કર્યો છે. પઠાણનું સુપરહિટ થવું કિંગ ખાન અને તેના ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નથી.